હિન્દુસ્તાન ટાઈમ્સ'ના રિપોર્ટ અનુસાર, બંને આ વર્ષે પાંચ જુલાઈએ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કરશે. આ લગ્નમાં કોઈ ભવ્ય આયોજન કે ગ્રાન્ડ રિસેપ્શન રાખવામાં આવશે નહીં. અંગત સમારોહમાં સંબંધને સત્તાવાર નામ આપશે. બંને એક નાની સાઈનિંગ સેરેમની દ્વારા પોતાના સંબંધોને ઓફિશિયલ કરશે. આમિર ખાને વર્ષ બે હજાર પચ્ચીસમાં પોતાના સાઈઠ મા જન્મદિવસ પર ગૌરી સાથેના પોતાના રિલેશનશિપની વાત મીડિયા સામે કન્ફર્મ કરી હતી. આમિર ખાનના આ ત્રીજા લગ્ન હશે. આમિરે પહેલા લગ્ન વર્ષ ઓગરીસો છીયાસી માં ફિલ્મ પ્રોડ્યુસર રીના દત્તા સાથે કર્યા હતા. વર્ષ બે હજાર બે માં રીનાથી અલગ થયા પછી, આમિરે વર્ષ બે હજાર પાંચ માં ડિરેક્ટર કિરણ રાવ સાથે બીજા લગ્ન કર્યા હતા. વર્ષ બે હજાર એકવીસ માં કિરણ અને આમિરના છૂટાછેડા થઈ ગયા હતા. એક વર્ષથી લિવ-ઇનમાં રહે છે કપલ. મીડિયા રિપોર્ટ અનુસાર, આમિર અને ગૌરી છેલ્લા એક વર્ષથી પણ વધુ સમયથી લિવ-ઇન પાર્ટનર તરીકે સાથે રહ્યા છે. સૂત્રો અનુસાર, બંને એક સાથે એક સુખી અને સ્થિર જીવન જીવી રહ્યા છે. હવે બંનેએ પોતાના પરિવારના સભ્યોની હાજરીમાં આ સંબંધને કાયદેસર રીતે આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. કપલના લગ્ન અત્યંત ખાનગી હશે, જેમાં ફક્ત બંનેના પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ સામેલ થશે. ગૌરી સ્પ્રેટ સલૂન આંત્રપ્રિન્યોર અને ફેશન પ્રોફેશનલ છે. ગૌરી સ્પ્રેટ બેંગલુરુની રહેવાસી, સલૂન આંત્રપ્રિન્યોર, અને ફેશન પ્રોફેશનલ છે. તે એક મિશ્ર સંસ્કૃતિના પરિવારમાંથી આવે છે, જેમાં તેના પિતા તમિલ-બ્રિટિશ મૂળના અને માતા પંજાબી-આઇરિશ મૂળના છે. ગૌરી ઓગરીસો વીસ ના દાયકામાં ભારતના સ્વતંત્રતા આંદોલન સાથે સંકળાયેલા બ્રિટિશ સામ્યવાદી ફિલિપ સ્પ્રેટની પૌત્રી છે. તેણે યુનિવર્સિટી 'ઓફ ધ આર્ટ્સ લંડન' માંથી ફેશન અને સ્ટાઇલિંગનો અભ્યાસ કર્યો છે. હાલમાં તે મુંબઈમાં 'બીબ્લન્ટ' સલૂન ચલાવે છે, અને આ પહેલા બેંગલુરુમાં પણ સલૂન ચેઇન સાથે સંકળાયેલી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તે હવે આમિર ખાન પ્રોડક્શન્સ સાથે પણ કામ કરી રહી છે. આમિર ખાનની જેમ ગૌરી પણ પહેલા પરિણીત હતી અને તેને સાત વર્ષનો એક દીકરો છે. બંને છેલ્લા બે વર્ષથી વધુ સમયથી મુંબઈમાં સાથે રહી રહ્યા છે. આમિર ખાન અને ગૌરી સ્પ્રેટ એકબીજાને છેલ્લા પચ્ચીસ વર્ષથી ઓળખે છે. બંને પહેલા ખૂબ સારા મિત્રો હતા, જે પછી તેમણે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું. જ્યારથી આમિર અને ગૌરીએ તેમના સંબંધોને સત્તાવાર કર્યા છે, ત્યારથી ગૌરીને અવારનવાર આમિર ખાન સાથે અલગ-અલગ ઇવેન્ટ્સ અને પ્રસંગોએ સાથે જોવામાં આવે છે. ગૌરીના આવવાથી આમિર પોતાને પૂર્ણ માને છે. એક જૂના ઇન્ટરવ્યુમાં આમિર ખાને, ગૌરી સાથેના પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી હતી. આમિરે કહ્યું હતું, "હું ખૂબ નસીબદાર છું કે મને ગૌરી મળી અને અમારો સંબંધ શરૂ થયો. તે શ્રેષ્ઠ છે અને તેમની સાથે મને ખૂબ શાંતિ મળે છે. જોકે, રીના દત્તા અને કિરણ રાવ સાથે પણ મારો સંબંધ ખૂબ ઊંડો હતો, પરંતુ વસ્તુઓ આગળ વધી શકી નહીં. હું પોતાને નસીબદાર માનું છું કે ગૌરી મારા જીવનમાં આવી. મને લાગે છે કે હવે હું પૂર્ણ થયો છું." બે હજાર બે માં થયા હતા પહેલા છૂટાછેડા.